અંગ્રેજી થાઉસંડ શબ્દમાં એ અક્ષર એક વાર આવે છે, પણ અંગ્રેજીમાં વનથી નાઈન હડ્રેડ એંડ નાઈટી નાઈનમાં એકપણ વખત એ અક્ષર આવતો નથી. કેમેલિયનની જીભ એના માથા અને શરીર જેટલી લાંબી હોય છે અને તે સોળ ફૂટ દૂર રહેલો પોતાનો શિકાર એક સેકંડમાં કરી શકે છે. ઝેબ્રા કાળા રંગના અને સફેદ લાઈનવાળા નથી પણ સફેદ રંગના અને કાળી લાઈનવાળા હોય છે. હાફીઝ કૉટ્રાક્ટર ભારતનાં ટોચના આર્કિટેક્ટ છે. શ્રી પુ. લ. દેશપાંડે સરકાર તથા પ્રજા તરફથી સન્માન-તેમની ટપાલ ટિકિટ-પદ્મશ્રી- પદ્મભૂષણ- અભિનેતા – ગાયક – દિગ્દર્શક – વક્તા – હાસ્યકાર અને લેખક હતા. છવ્વીસ મી માર્ચનો દિવસે 'રંગભૂમિ' દિવસ તરીકે ઉજવાય છે. માછલી પાણીમાં રહે છે પણ એની આંખો પર પાંપણ નથી હોતી. દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે. પતંગિયાની લગભગ વીસ હજાર જેટલી જાતિ છે. જાપાનમાં એક ઝાડ એવું છે કે જેમાંથી સૂરજ આથમવાના સમયે ધુમાડો નીકળે છે. ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર સૌથી વજનદાર હોય છે. સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ મિનિટ ઊંઘી શકે છે. હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક સૂઈ શકે છે. હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે. શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે પરંતુ ઉડી નથી શકતા. મી. દૂર સુધી સંભળાય છે. અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ પક્ષી જગતમાં સૌથી લાંબી છે. વ્હેલ માછલીનું વજન આશરે એકસો પચાસ ટન જેટલું હોય છે. લાઓસ એક એવો દેશ છે કે જ્યાં સિક્કાનું ચલણ નહિ પણ ફક્ત નોટોનું ચલણ ચાલે છે. ભારતના લક્ષદ્વિપ એવો વિસ્તાર છે કે જ્યાં એક પણ હિન્દુ મંદિર નથી. ભારતમાં સહુથી ઓછો વરસાદ બિકાનેરમાં થાય છે. ભારતની સૌ પ્રથમ બેંકનું નામ 'બેંક ઓફ હિન્દુસ્તાન' હતું! દુનિયામાં સહુથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં છે! દુનિયાની સૌથી પહેલી ટેલિફોન સેવા અમેરિકાના નાના શહેરમાં થઈ હતી. ફક્ત વીસ લોકો પાસે ફોન હતો. દુનિયામાં ગુલાબના ફૂલની કુલ સાતસો બાણું જાત છે. દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર ફ્રાંસનું પેરિસ શહેર છે. દુનિયાની સૌથી મોટી ઘડિયાળ મેઉથ મૉસ્કોમાં આવેલી છે. દુનિયાનું સહુથી મોટું રેલ્વે સ્ટેશન ન્યુયોર્કમાં આવેલું 'ગ્રેટ સેંટ્રલ ટર્મિનલ' છે. ઊંટ પોતાના શરીરને ઠંડુ રાખવા એકબીજા સાથે અડીને બેસે છે કારણ એમનાં શરીર પર ઓછામાં ઓછા સૂર્યકિરણ પડે છે. જંગલી કૂકડો શરમાળ, ચકોર હોય છે. જંગલી ભેંસને અરણી, ઢીંગી પણ કહે છે. જંગલી કૂતરાઓ હંમેશા ટોળામાં રહે છે. દરિયાઈ ઘોડાને જ્યારે ગુસ્સો આવે ત્યારે એનાં શરીરમાંથી લાલ પરસેવો નીકળે છે. ઘોડાની સાઠ જાતો છે. અરબી ઘોડો શ્રેષ્ઠ માનવામાં આવે છે. રાતો બગલો દિવસે આરામ કરી